મોરના પીંછાની જેમ, તે જોવું સંતોષકારક છે કે સમૃદ્ધ સંતૃપ્ત વાદળીનો એક ઔંસ પણ, ગ્રે અથવા સફેદ રંગોથી પૂરક તમારા ઘરને એક ભવ્ય જગ્યામાં પરિવર્તિત કરી શકે છે. નોંધનીય છે કે મોરનાં ઘરની સજાવટમાં સામેલ મોરનાં રંગો એકબીજા સાથે ભળેલાં હોવાનાં નથી, બલ્કે, તેઓ પૂરક સ્વર તરીકે એકબીજાથી અલગ હોવા જોઈએ. તમારા ઘરને સુશોભિત કરવા માટે મોરના ઘરની સજાવટના વિચારોનો ઉપયોગ કરવાની ઘણી બધી રીતો છે. જેઓ વધુ ક્લાસિક દેખાવ શોધી રહ્યા છે, તેઓ તમારી દિવાલો પર મોરના રંગો પસંદ કરી શકે છે. તદુપરાંત, જો તમારી પાસે સાદી સફેદ દિવાલો હોય, તો મોર રંગમાં બનાવેલું ફર્નિચર ચોક્કસપણે તમારા અન્યથા સરળ ઘરને રંગનો પોપ ઉમેરશે. વધુમાં, મોર રંગનો ઉપયોગ વિન્ડોપેન્સ, પડદા, બ્લાઇંડ્સ, લાકડાના કામ, ઘરના છોડના પોટ્સ, પેઇન્ટિંગ્સ તેમજ ડ્રીમ કેચર માટે કરી શકાય છે. છેવટે, ઘરનો સાચો ઉત્સાહી જાણે છે કે તમારા ઘરની સાચી સુંદરતા થોડી વિગતોમાં રહેલી છે. જ્યારે મોટાભાગના લોકો ફક્ત તેમની દિવાલો અને છત પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે તમે તમારા શોપીસ તેમજ તમારા ઘરના ખૂણાઓ અને ખૂણાઓમાં મોર ઘરની સજાવટના રંગો ઉમેરી શકો છો. હવે, ચાલો જાણીએ કે તમે તમારા સ્વીટ હોમના વિવિધ મહત્વના વિસ્તારોમાં મોરનાં ઘરની સજાવટના નોંધપાત્ર વિચારોને કેવી રીતે અમલમાં મૂકી શકો છો. લિવિંગ રૂમ માટે પીકોક હોમ ડેકોર મોર થીમ આધારિત લિવિંગ રૂમ જ્યારે મોરના ઘરની સજાવટની વાત આવે ત્યારે તમારા લિવિંગ રૂમમાં ન્યૂનતમ શણગાર હોવો જોઈએ અને તેનો ઉપયોગ એક્સેસરી તરીકે કરવો જોઈએ જે તમારા લિવિંગ રૂમમાં યોગ્ય માત્રામાં રંગ ઉમેરે છે. તમારું ફર્નિચર પૂરક મોર રંગનું હોવું જોઈએ જેમ કે સફેદ, રાખોડી અથવા વાદળી રંગનું ઊની કાપડ. તમે દિવાલોને રંગવા માટે સુખદ હાથીદાંતના શેડનો પણ ઉપયોગ કરી શકો છો અને સમાન શેડના પડદા સાથે મોર-રંગીન ગોદડા અને કાર્પેટ પણ મેળવી શકો છો. તમે પૂરક એસેસરીઝ ઉમેરવાનું પણ પસંદ કરી શકો છો જેમ કે બુદ્ધ, ગણેશની પ્રતિમા અથવા ફૂલદાની જે પૂરક રંગોમાં ડિઝાઇન કરવામાં આવી છે. વધુમાં, કેકમાં આઈસિંગ ઉમેરવા માટે, તમે વાસ્તવિક મોર પીંછાવાળા લાકડાના કેસ માટે જઈ શકો છો, જે કોઈપણ ફર્નિચર માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે. બેડરૂમ સ્પેસ માટે પીકોક હોમ ડેકોર બેડરૂમ માટે પીકોક હોમ ડેકોર તમારો બેડરૂમ એવી જગ્યા છે જ્યાં તમે આરામ કરવા અને સારી ઊંઘ લેવા આવો છો. બેડરૂમના રંગો આંખો પર વધુ ભારે હોવા જોઈએ અને કોઈપણ પ્રકારની અગવડતા લાવવી જોઈએ નહીં. તેથી, જો તમે તમારા બેડરૂમ માટે મોરનાં ઘરની સજાવટનાં વિચારો પર વિચાર કરી રહ્યાં છો, તો તમારે તમારા ચહેરા પર બધું રાખવાને બદલે સજાવટને તટસ્થ રાખવી